જિલ્લામાં પુરની પરિસ્થિતિ વચ્ચે અત્યાર સુધીમાં બે હજાર પાંચ સો ચાલીસ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમણે કરબલામાં સત્ય અને ન્યાય માટે પોતાનું બલિદાન આપ્યું હતું જો કે શહાદતના માનમાં મઝલિસ અને ધાર્મિક બેઠકોનું સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે આકાશવાણી પરથી આજે પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે દેશની યુવા પેઢી નવકલ્પના અને સમસ્યાઓના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે બુધવારથી વરસાદનું જોર ઘટવાની અને તડકો નીકળવાની આગાહી તો વંથલી તાલુકાના કણઝા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં માલધારીઓને પોતાના પશુઓને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી પ્રકૃતિ વંદન કાર્યક્રમ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા ઈનિશિયેટીવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેઈનિંગ ફાઉન્ડેશન અને પર્યાવરણ ગતિવિધિના સંયુક્તરૂપે પ્રકૃતિ વંદન યોજાયો જ્યાં દસ લાખ પરિવારો એક સાથે આવ્યા છે અને તેમણે માતા પ્રકૃતિ અને માતા પૃથ્વી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો છે મહોરમ કરબલાના મેદાનમાં ખાતે પૈયગંબર મહોમ્મદના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ વ્હોરેલી શહાદતના માનમાં આજે સમગ્ર દેશમાં આશુરા એ મહોરમ પર્વ મનાવવામાં આવી રહ્યો છે પ્રકૃતિ વંદન કાર્યક્રમ દેશના ચોવીસ થી વધુ રાજ્યોમાં અને વિશ્વમાં પચ્ચીસ દેશોમાં એક સાથે યોજાયો હતો આ ઉપરાંત નિર્વાસિત સિંધીભાઈઓ પરિવારો સહિતના નિર્વાસિતોને રેન્ટથી આપેલ કે વાર્ષિક માસિક ટોકનથી આપેલ મિલકત અથવા ખુલ્લી જમીન જે બાંધકામ વગરની છે તેના અંદાજ એક હજાર એક સો છન્નું કિસ્સા મળી સમગ્રતયા કુલ આશરે ચાર હજાર સિત્યોતેર જેટલા આવા કેસો છે તેમણે વિવધ ક્ષેત્રોમાં પ્રગતિ સાધવાનો અનુરોધ કર્યો હતો અનેક બંધો છલકાયા જેમાં તાલુકા સેવા સદનમાં સાઈઠ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રશ્નનું નિવારણ લાવતા જાહેર કર્યું છે કે નિર્વાસિતોની મિલકતો સહિતની આવી દુકાનો ગોડાઉનો છૂટક જમીનોના ભાડુઆતોને કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડાપટ્ટે અપાશે પ્રધાનમંત્રીએ દેશમાં કપ્યુટર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમ વિકસાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો રાજ્યમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ જો કે તેમણે કોવિડના સંક્રમણને રોકવા માસ્ક પહેરવા સહિતના નિયમોનું ચૂસ્ત રીતે પાલન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો દરિયાકિનારે આવેલા લાઇટહાઉસ અર્થાત દીપસ્તંભોનું મહત્વ તથા પર્યટકોમાં રહેલા તમના આકર્ષણનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું કે પ્રવાસનને નવું બળ આપે તેવા એકોતેર લાઉટ હાઉસ તારવી કઢાયા છે શ્રી મોદીએ બનાસકાંઠાના ખેડૂતોએ મધમાખી ઉછેર બાબતે કરેલી કામગીરીની વિગતો આ મુજબ આપી આવા ખાસ લાઇટહાઉસમાં મ્યુઝિયમ ચીલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ ઊભી કરાશે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કોરોના ગાઈડલાઈન સાથે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે પચ્ચીસ બે કરોડ઼ એંસી લાખ બત્રીસ હજાર એકવીસ ચાર ગુજરાતહોળી ગુજરાતમાં આજે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવશે અને ધાર્મિક વિધિ કરી શકાશે અગરિયા હિતરક્ષક સમિતિના કન્વીનર ભરતભાઈ સુમેરા જણાવે છે કે એક બે સમયે ઝીંઝુવાડા મહત્વનું બંદર હતું અહીંથી દરિયાઈ માર્ગે હાલના પાકિસ્તાન અરબસ્તાન એવા સિંધ પ્રદેશ સાથે વેપાર ચાલતો હતો અહીં સરસ્વતી નદી વહેતી હતી પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો।